કમ્પ્યુટરમાં કોપી, કટ અને પેસ્ટ કેવી રીતે કરવું? કમ્પ્યુટર ઉપયોગ કરતી વખતે તમે, અને આ ત્રણ વસ્તુઓ જરૂર જોઈ હશે અને કારણ કે આનાથી કમ્પ્યુટરમાં તમારું ઘણું-બધુ કામ સહેલું થઈ જાય છે. આજે આ પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટરમાં શું હોય છે? અને તેના ફાયદા પણ જાણીશું. કોપી એટલે શું? કોઈ ફાઇલને કોપી કરવા માટેની બે રીત.કટ એટલે શું? કોઈ ફાઇલને કટ કરવા માટેની બે રીત. પેસ્ટ એટલે શું? કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો આ ત્રણ અલગ-અલગ કમાન્ડ છે જેનો ઉપયોગ કમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસમાં થાય છે. કોપી એટલે શું? કમ્પ્યુટરમાં કોપી એટલે એક જ વસ્તુની બીજી જગ્યા પર જઈને ડુપ્લિકેટ વસ્તુ બનાવવી. તમારી પાસે કોઈ ફાઇલ હોય અને તમને તે ડિલીટ થઈ જાય એની બીક હોય તો તમે તે ફાઇલની એક બીજી કોપી બનાવી શકો છો. કોપીમાં તમે ઓરિજનલ વસ્તુ જેવી જ બીજી ફાઇલ બનાવી શકો છો. "કોપી" કમાન્ડ "પેસ્ટ" કમાન્ડ વગર અધૂરું છે. કોઈ ફાઇલને કોપી કરવા માટે માઉસ વડે તેને સિલેક્ટ કરો અને રાઇટ ક્લિક કરો અને મેનૂમાં તમને નીચે કોપી બટન દેખાશે તો તેના પર ક્લિક કરવું. કમ્પ્યુટરમાં કટ એક કોપી જેવો જ કમાન્ડ છે જેની મદદથી તમે કમ્પ્યુટર કોઈ એક ફાઇલને બીજી જગ્યા પર લઈ જઈ શકો છો. જો તમારે કોઈ એક ફાઇલને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવી હોય તો તેને તમે કટની મદદથી લઈ જઈ શકો છો. કટ અને પેસ્ટ આ બંને કમાન્ડ એક બીજા વગર અધૂરા છે કારણ જો તમે કોઈ ફાઇલને કટ કરી એટલે તે ફાઇલને પોતાની અસલી જગ્યા પરથી ઉઠાઈ લીધી અને હવે તમારે એ ફાઇલને જ્યાં મૂકવી હોય તો તેના માટે તમારે પેસ્ટ કમાન્ડનો ઉપયોગ કરવો પડે. કોઈ ફાઇલને સિલેક્ટ કરો અને માઉસમાં રાઇટ ક્લિક કરો અને નીચે કટ બટન દેખાશે તો તેના પર ક્લિક કરવું.